એક ગામમાં ગયા. ગૃહસ્થને ત્યાં ધામો નાખ્યો. ગૃહસ્થે કહ્યું અમારા હાથનું તો આપને ન ખપે એટલે હું આપને સીધુ સામાન તૈયાર કરી આપું છું. આપ રસોઈ બનાવો આપણે સૌ જમીશું. બન્નેએ કહ્યું 'આપની વાત કબૂલ છે. અમને રસોઈ આવડે છે. આપ નચિંત રહો. ગૃહસ્થના પત્નીએ બ્રાહ્મણોને સીધું કાઢી આપ્યું. બન્ને બ્રાહ્મણો રસોઈ બનાવવા લાગ્યા. ગૃહસ્થ અને તેની પત્ની જરા દૂર ગયાં એટલે દયારામને પૂછવાનું મન થયું અલ્યા મયારામ, આપણે લાડુ કેવા બનાવીશું? મયારામે કહ્યું એટલું પણ સમજતો નથી. આપણા બન્નેના લાડવા ઘીથી લચપચતા ખસખસથી ભરેલા બનાવવાના અને બાકીના લાડવા દેખાવમાં લાદવા જેવા જણાય તેવા જ. દયો પૂછે મયાને ભાઈ લાડુ કરીશું કેવા? આપણા બેના લચપચતા, બાકી જોયા જેવા, સંસ્કૃત કહેવતે પણ કથ્યું છે. તુષ્યન્તિ ભોજને વિપ્રા ભોજનથી બ્રાહ્મણ પ્રસન્ન થાય છે સંતોષાય છે. ભાટ અને બ્રાહ્મણ સરખા બ્રાહ્મણોની સામે જોવામાં આવે એટલે તે વળગ્યા જ સમજવા. આપણી કહેવતે શબ્દોમાં આ કહ્યું છે ભાટ બ્રાહ્મણનું લાકડું, વણ પેસાડ્યું પેસે; સામું જોતાં ઉભા રે' ને, આવો કે'તાં બેસે બ્રાહ્મણ ઘેર ખાય તે ઝેર ખાય બરોબર બ્રાહ્મણ ભોજનના નિમંત્રણથી પ્રસન્ન બની જાય છે કોઈને ત્યાંથી જમવાનું નિમંત્રણ ન આવે તો તેને ચેન પડતું નથી. ઘરનું ખાવા તેનું મન તલપતું નથી. આપણી કહેવતે બ્રાહ્મણની લાલસાની આ વાત કહેવતમાં કથી જ છે 'બ્રાહ્મણ ઘેર ખાય તો ઝેર ખાય બરાબર'કારણ શું? કહેવત કહે છે બ્રાહ્મણ કીધા જમવા ને ભવાયા કીધા રમવા. બ્રાહ્મણને પર ઘેર ભોજન માટે જ જન્મ મળ્યો છે. એક લોકવાર્તા છે. એક બ્રાહ્મણને ત્રણ ઘેરથી ભોજનના નિમંત્રણ આવ્યા. બ્રાહ્મણે એ ત્રણે સ્વીકાર્યા. ત્રણ ઘરનું ભોજન પેટમાં ભરચક ઠાંસીને બ્રાહ્મણ ઘેર આવ્યો. ચલાય પણ નહિ. લથડીયા ખાતો ખાતો ઊંઘથી ઝોકા ખાતો ખાતો એ ઘરના આંગણામાં આવ્યો અને પટકાઈ પડ્યો. તો પણ ગોરાણીને કહેવા લાગ્યો: ખીર ખાંડ વિધવિધના વડાં ને પેટ થાય છે તડાં તડાં ઊઠો ગોરાણી ઢોલીઓ ઢાળે, ને પેટ ઉપર ભીનું પોતીઉં વળો નોતરાં આપે વળી વાળી, ને આંખ જાય છે મળી મળી. રખે ગોરાણી આકળાં થાતાં, ને મને મૂકીને તમે જમવા જાતાં. 'ઘરનું ભોજન ઝેર બરાબર' કહેવાયું છે તે ખોટું નથી જ. પારકું ભોજન જ શ્રેષ્ઠ છે. એક વખતે એક એક બ્રાહ્મણને ત્યાં એક ગૃહસ્થ આવ્યા અને સહકુટુંબ જમવા આવવાનું નિમંત્રણ આપ્યું. પિતા અંદરના ખંડમાં સંધ્યા કરી રહ્યા હતા. બહાર માત્ર બાળક જ હતો. ગૃહસ્થે બાળકને નિમંત્રણ આપી દીધું. બાળકે પિતાને કહ્યું પિતાજી! ગૃહસ્થ આવ્યા છે. આગ્રહ કરીને ભોજન માટે નિમંત્રણ આપે છે. શું કહું? ઉધ્વ ગચ્છન્તિ ડકકારા: અધો વાયુર્ત ગચ્છતિ। નિમંત્રણમાગતં દ્વારે કિં કરોમિ પિતામહ॥ ખાટાં અજીકરણના ઓડકારો આવી રહ્યાં છે.